પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુનીલ બંસલ, બિપ્લવ કુમાર દેવ, મંગલ પાંડે, રાહુલ સિંહા, અમિત માલવિયા, નિશિકાંત દુબે, સંજય જયસ્વાલ અને સતીશ ગૌતમ હાજર છે. કાર્યકરો કાર્યાલય પરિસરમાં ઉજવણી કરતા જોવા મળ્યા. કૉપી લિંક કૉપી લિંક બગદાથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મધુપર્ણા ઠાકુરે આરોપ લગાવ્યો કે મુસ્લિમ બૂથો પર પાછળ રહેવું અશક્ય છે. આ એ વાતનો સંકેત છે કે હેક કરવામાં આવ્યું છે. દસ મા રાઉન્ડ પછી નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી ચૌદ હજાર છ સો એકત્રીસ મતોથી આગળ ચાલી રહ્યા છે. કૉપી લિંક ભાજપ પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે. એક હાજર નવસો એંસી માં જનસંઘના નેતાઓએ ભાજપની રચના કરી હતી. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના હતા. એક હજાર નવસો બાવન માં જ્યારે જનસંઘે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી ત્યારે પાર્ટીને માત્ર નવ બેઠકો મળી હતી. એક હજાર નવસો સડસઠ માં એક બેઠક મળી. સુધી ભાજપ બંગાળની કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલી શકી ન હતી. પહેલીવાર બે હજાર સોળસોમાં પાર્ટીને ત્રણ બેઠકો મળી. પછી બે હજાર એકવીસમાં સત્યોતરે બેઠકો પર જીતી અને હવે પોતાના દસ દમ પર સરકાર બનાવતી દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોલકાતાના છ મુરલીધર સેન લેન સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ઝાલમુરી સાથે ઉજવણી કરી. કૉપી લિંક જમ્મુ-કાશ્મીરમાં નેતા ઇલ્તિજા મુફ્તીએ પશ્ચિમ બંગાળમાં આવેલા વલણોને ધોળા દિવસે લૂંટ ગણાવી. ઇલ્તિજાએ કહ્યું કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી. કૉપી લિંક કૉપી લિંક આસનસોલના જામુડિયા વિસ્તારમાં અંતિમ ચૂંટણી પરિણામો આવે તે પહેલાં જ તણાવ વધી ગયો છે. જામુડિયાના ચુરુલિયા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના પાર્ટી કાર્યાલયમાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. ભાજપ પર આ આગજનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાણીહાટી બેઠક પર ભાજપના ઉમેદવાર અને આર. જી. રેપ પીડિતાના માતા અંદાજે દસ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. ઉત્તર ચોવીસ પરગણાના બેરકપુરમાં રાષ્ટ્રગુરુ સુરેન્દ્રનાથ મતગણતરી કેન્દ્ર પર અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. કૉપી લિંક મમતા બેનર્જીએ કહ્યું કે અંતિમ રાઉન્ડ પછી જીત અમારી જ થશે. ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે. કૉપી લિંક પશ્ચિમ બંગાળના નાદિયા રાણાઘાટ મતગણતરી કેન્દ્ર પર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી. કૉપી લિંક પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે રવિવારે કચરાના ઢગલામાંથી મળેલી સ્લિપ અંગે જણાવ્યું હતું કે, તેની તપાસ કરવામાં આવશે. આ સ્લિપ મોક પોલની છે. તેનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપને પિસ્તાલીસ ટકા વોટ મળ્યા અને આલત્રીસ ટકા, સંદેશ સ્પષ્ટ છે અને વલણ પણ સ્પષ્ટ છે. કૉપી લિંક મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના કંટ્રોલ રૂમમાંથી સમગ્ર રાજ્યમાં મતગણતરી કેન્દ્રો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.